માઉસ વિશે સંપૂર્ણ જાણકારી કમ્પ્યુટર નેટવર્ક એટલે શું? કમ્પ્યુટર નેટવર્કના પ્રકાર વિશે જાણકારી આઉટપુટ ડિવાઇસ એટલે શું? જાણો આઉટપુટ ડિવાઇસના નામ ચિત્રો સાથે આ પોસ્ટને શેર કરો. ટુ કમ્પ્યુટર વચ્ચે કેબલથી ડેટા શેર કેવી રીતે કરવા? ઘણી વખત આપણે એક કમ્પ્યુટરમાથી બીજા કમ્પ્યુટરમાં ડેટા કે કોઈ ફાઇલને શેર કરવી હોય એટલે એક ફાઇલને બીજા કમ્પ્યુટરમાં મોકલવી હોય તો તેના માટે તમે અલગ-અલગ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો છો અને પછી વાયરલેસથી ડેટા ટ્રાન્સફર કરો છો પણ આજે આપણે ડેટા શેર કરવા માટે કેબલનો ઉપયોગ કરવાના છીએ. એક એવો કેબલ છે જેના દ્વારા તમે એક કમ્પ્યુટરને બીજા કમ્પ્યુટર સાથે કનેક્ટ કરી શકો છો જેથી ડેટાનું આદાનપ્રદાન ઝડપી થઈ શકે છે. કેબલ દ્વારા તમે વાઈફાઈ કે કરતાં પણ ઝડપી ડેટાનું આદાનપ્રદાન કરી શકો છો, તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ ટુ કમ્પ્યુટર વચ્ચે કેબલની મદદથી ડેટા શેર કરવાની રીત જાણીએ. ટુ કમ્પ્યુટર વચ્ચે ડેટા શેર કરવાની સરળ રીત તમારે ટુ કમ્પ્યુટર વચ્ચે ડેટાને શેર કરવા માટે એક કેબલની જરૂર પડે છે જે તમે કોઈ ઈલેક્ટ્રોનિક દુકાન પરથી ખરીદી શકો છો અથવા ઓનલાઇન પણ ખરીદી શકો છો. કેબલ લેશો તો તમારે ટુ કમ્પ્યુટર વચ્ચે ડેટાને મોકલવા માટે ઇન્ટરનેટ કનેક્શનની પણ જરૂર નહીં પડે, બસ કેબલ દ્વારા જ તમે ટુ કમ્પ્યુટર કે લેપટોપ વચ્ચે ફાઇલ શેર કરી શકો છો. જો તમારી પાસે વન કમ્પ્યુટર અને બીજું લેપટોપ છે તો પણ તમે આ રીતથી ડેટા શેર કરી શકો છો તો ચાલો હવે સ્ટેપ બાય સ્ટેપ રીત જાણીએ. રીત- સૌપ્રથમ કેબલ લો. હવે કેબલને બંને કમ્પ્યુટર કે લેપટોપના પોર્ટમાં જોડો. હવે બંને કમ્પ્યુટરમાં ખોલો. હવે જમણી બાજુ ઉપર બટનમાં સર્ચ કરો અને પર ક્લિક કરો. હવે ડાબી બાજુ પર ક્લિક કરો. હવે માં ઉપર ફોટામાં તમને જે પ્રમાણે સેટિંગ બતાવેલું છે તેવું જ તમારા બંને કમ્પ્યુટરમાં સેટિંગ કરો. હવે ફરી જમણી બાજુ સર્ચ બટનમાં સર્ચ કરો અને પર ક્લિક કરો. હવે તમે બંને કમ્પ્યુટરમાં કેબલ જોડી દીધો હશે તો તમને અહી નેટવર્ક બતાવવામાં આવશે, મે અહી અત્યારે મારૂ વાઈફાઈ કનેક્શન જોડયું છે એટલે અહી મોબાઇલ નામ બતાવે છે. તમે કેબલ જોડયું હશે તો વન, ટૂ કે થ્રી તમને બતાવવામાં આવશે. હવે તમારે જમણી બાજુ જે વાદળી કલરનું ટેક્સ્ટ દેખાય છે તો તેના પર ક્લિક કરવું. હવે પર ક્લિક કરો. હવે ફોર પર ડબલ ક્લિક કરો. હવે ટીક કરો અને મે તમને જણાવ્યુ હતું કે બંને કમ્પ્યુટરમાં સરખા જ સેટિંગ કરવાના છીએ તો અહી ખાલી તમારે થોડો ક જ જુદો સેટિંગ કરવાનો છે જે તમે નીચે જોઈ શકો છો. નીચે જે બતાવેલું છે એ બંને કમ્પ્યુટરમાં તમે અલગ-અલગ ભરી દો.